પરી આંખમાં ઝળકતાં તેનાં આંસું લૂછતાં બોલેલી," હવે રાજા તું એકલો નથી, આ પરી તારી જોડે જ રમવા આવશે." રાજા ખુશ થઈને પરીનો હાથ પકડીને બોલ્યો,"સાચે જ તું મારી મિત્ર બનીશે? તો હું પણ તને વચન આપું છું કે હું તને કદાપિ નહીં ભૂલું." પછી તો એક મહિનો નાનકડી પરી અને રાજા સાથે જ રમવા લાગ્યાં. પરી તેની મા પાસે સરસ રસોઈ બનાવડાવી નાનકડાં રાજાને તેનાં હાથેથી ખવડાવતી. રાજા પણ પહેલાં પરીને ખવડાવતો. પરીના પિતા જે વનનાં રાજા હતાં તે પણ આ બંનેની દોસ્તી જોઈ ખુશ થતાં. પરી રાજાને તેનાં મહેલમાં પણ રમવા લઈ જાતી. બંનેનાં જીવ મળી ગયાં હતાં. પ્રકૃતિના સાનિધ્યમાં તીરંદાજી શીખતાં તો નાનકડો રાજા તેને તલવાર ચલાવતા શીખવતો. પરી માટે ઝાડ પરથી ફળો તોડી લાવતો. આમ બાળપણનો આનંદ માણતો રાજા પરીના સાનિધ્યમાં દુખ ભૂલવાં લાગ્યો હતો. અચાનક એકવાર કોઈ દુશ્મનોના ઘોડાઓ ખુલ્લી તલવારો સાથે દોડવા લાગ્યાં જંગલમાં. પરીને જાણવાં મળ્યું કે,"તે કોઈ દુશ્મન બાળ રાજકુમારને શોધી રહ્યાં છે." પરીએ પિતાજી પાસે જીદ કરતાં પિતાજી પોતાનાં સૈનિકો સાથે બાળકીનું મન રાખવાં વનમાં સાથે આવ્યાં અને જોયું તો રાજાની ઝુંપડી સળગી રહી હતી. રાજાની પરી વસુંધરા હીબકાં ભરવા લાગી. તે દોડીને તે રોજ રમતાં તે જાંબુના ઝાડ પાસે ગઈ પણ રાજા ન દેખાયો. ચીસો પાડતી વસુંધરા પાગલની જેમ રાજાને પોકારતી રહી. પિતાજીએ તેને વહાલ કરતાં કહ્યું,"બેટા એ રાજકુમારના નશીબ હશે તો જ બચી શકે નહીતર આ લોકોએ તેને મારી નાખ્યો હશે." પરીએ ચીસ પાડી અને તેની નજ઼ર ઝાડનાં થડ નીચે રેતીમાં લખેલા અક્ષરો પર ગઈ તે દોડીને ત્યાં જઈને વાંચ્યું,"પરી અને રાજા કદીય અલગ નહીં થાય. જો થાશે તો આપડ઼ે કોઈએ શોધવાનાં નહીં, ભગવાન મળાવે એ જ સાચી મિત્રતા." પરીની સાથે તેનાં પિતા વનવાસી રાજા પણ રડી પડ્યાં હતાં. તેમણે વસુંધરાને આશ્વાસન આપતાં કહ્યું,"જો બેટા રાજકુમારે કહ્યું તેમ તારે શોધવાનો નથી તેને. તું હવે એ કામ ભગવાન પર છોડી દે, અને હું વિદ્યા ગ્રહણ કરવા ગુરુજી પાસે મોકલું ત્યાં જઈને મજબૂત વીરાંગના બનીને પાછી ફરજે. જેથી તું રાજાને શોધી અને તેને મદદરૂપ બની શકે." વસુંધરાએ પિતાની વાત માની અસ્ત્ર શસ્ત્રનો અભ્યાસ ગુરુજી જોડે કર્યોં, અને નિપુર્ણ યૌદ્ધા બનીને તે મોટી થઈ પાછી ફરી હતી, અને આ તેની અભ્યાસકાળની સહેલી રાજકુમારી તેની બધી જ પ્રેમ કહાની જાણતી હતી. અચાનક વીરનાં કણસવાનો અવાજ આવતાં તે વિચારોમાંથી જાગી અને આ વીરમાં તેને રાજાનો અહેસાસ દેખાયો.